વિપક્ષો તેનાથી દૂર ભાગી રહ્યા છે, અમે નહીં. ત્યારબાદ તેમણે કહ્યું હતું કે કેરોસીન આખા દેશમાં ફેલાઈ ગયું છે, બસ આપણને માચીસની જરૂર છે. તેમણે સવાલ કર્યો હતો કે, “આજે મારે પૂછવું છે કે રાહુલ ગાંધી માચીસ શોધવા ક્યાં ગયા હતા? અમેરિકા?” તેમણે વધુમાં રાહુલ ગાંધીની વિદેશમાં થયેલી કેટલીક મુલાકાતો અને કાર્યક્રમોનો ઉલ્લેખ કર્યો હતો. ફ્લાઈંગ કિસ અંગે વિવાદ ગૃહમાં રાહુલ ગાંધીના ફ્લાઈંગ કિસના આક્ષેપ અંગે ભાજપની મહિલા સાંસદોએ લોકસભાના સ્પીકરને ફરિયાદ કરી હતી. તેમણે સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે ગૃહમાં આવું વર્તન ક્યારેય જોવા મળ્યું નથી. મહિલા સાંસદોએ આક્ષેપ કર્યો હતો કે રાહુલ ગાંધીએ ગૃહમાંથી બહાર નીકળતી વખતે ફ્લાઈંગ કિસ આપી હતી. કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજેએ પણ સ્પીકરને આ અંગે ફરિયાદ કરી હતી. સ્મૃતિ ઈરાનીનો રાહુલ ગાંધી પર પ્રહાર રાહુલ ગાંધીના ભાષણ બાદ ભાજપના સાંસદ સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું, “તમે ભારત નથી, કારણ કે ભારત ભ્રષ્ટ નથી. ભારત વંશવાદમાં નહીં, પરંતુ યોગ્યતામાં માને છે.” તેમણે કહ્યું હતું કે હવે ભારતમાં યોગ્યતાને સ્થાન મળ્યું છે. તેમણે “ભારત છોડો”ના નારા સાથે ભ્રષ્ટાચાર અને વંશવાદ સામે પણ અવાજ ઉઠાવવાની વાત કરી હતી. સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે તેઓ અવિશ્વાસ પ્રસ્તાવનો વિરોધ કરે છે અને સમગ્ર સમસ્યાના મૂળમાં કોંગ્રેસનો પરિવારવાદ છે. તેમણે અદાણી મુદ્દે પણ વિપક્ષ પર સવાલ ઉઠાવ્યા હતા. સ્મૃતિ ઈરાનીએ વધુમાં કહ્યું હતું કે મહિલાઓ વિશે કેટલાક લોકો શું વિચારે છે તે આજે ગૃહમાં જોવા મળ્યું. તેમણે ફ્લાઈંગ કિસના આક્ષેપનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે રાહુલ ગાંધીએ સાંસદોનું અપમાન કર્યું છે અને ગૃહની ગરિમા જાળવી નથી. તેમણે એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે શું કોંગ્રેસ દેશના ભાગલા ઈચ્છે છે. તેમણે કોંગ્રેસના ઇતિહાસ અને વિવિધ મુદ્દાઓ પર તેના વલણની ટીકા કરી હતી. ઓલા ઈલેક્ટ્રિકનું નવું મોડલ ઓલા ઈલેક્ટ્રિક પંદર ઓગસ્ટના રોજ ભારતમાં પોતાનું નવું મોડલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી હતી. ઓલા ઈલેક્ટ્રિક ભારતમાં મોટા ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદકોમાંની એક છે. તેની પ્રીમિયમ ઓફરિંગમાં ઓલા એસવન અને એસવન પ્રો સ્કૂટર્સનો સમાવેશ થાય છે. એસવન એરનાં તાજેતરના લોન્ચિંગ બાદ, કંપની ઇલેક્ટ્રિક સ્કૂટર માર્કેટમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી હતી. અહેવાલો અનુસાર, નવા મોડલમાં ડિઝાઇન અને ફીચર્સમાં કેટલાક સુધારા કરવામાં આવી શકે છે. વર્તમાન મોડલ્સમાં આગળના ભાગમાં સિંગલ-ફોર્ક સસ્પેન્શન આપવામાં આવે છે. નવા મોડલના અન્ય ફીચર્સ અને કિંમત અંગેની વધુ વિગતો લોન્ચ સમયે સ્પષ્ટ થવાની હતી.